નિકાસ પ્રતિબંધ સ્થાનિક પ્રાપ્યતા અને મધ્યમ ભાવો જેવા નિયમો દ્વારા આયાત જકાત અને નિકાસ વ્યવસ્થાપન જેવા વેપાર અને નાણાકીય નીતિનાં સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. ચાર તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પાંચ સભ્યોના પ્રતિનિધિ મંડળે પશ્ચિમ બંગાળમાં મુક્ત અને નિષ્પક્ષ મતદાન સંબંધિત મુદ્દાઓ પર ચૂંટણી પંચને રજૂઆત કરી. દેશભરમાં કૃષિ પેદાશોના ઝડપી પરિવહનને સુનિશ્ચિત કરવા કિસાન રેલ એ મહત્વનું પરિવર્તન છે. ઘરેલુ અને બાહ્ય માંગ પ્રતિબંધોને સરળ બનાવવા તાજેતરના મહિનાઓમાં ઉત્પાદનમાં સુધારો થયો છે. ભારત ડાયનામિક્સ લિમિટેડ એક હજાર એક સો ઈઠ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે મિસાઇલો પૂરી પાડશે. તે ખેત પેદાશોની પુરવઠા શૃંખલા ઉભી કરે છે. સઘન લશકરી તાલીમ પછી ત્રણ સંયુક્ત કવાયત દરમિયાન આતંકવાદી જૂથો પર પ્રહાર ક્ષમતા અને વર્ચસ્વ દર્શાવતી બાબતો આવરી લેવામાં આવી હતી. લોકસભામાં આજે પ્રશ્નકાળ દરમિયાન જવાબ આપતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે, કોઈપણ રસી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સખત વૈજ્ઞાનિક પરીક્ષણો અને નિષ્ણાતોની ચકાસણી હેઠળ જ આપવામાં આવે છે. ખાદ્ય ચીજોની કિંમતોમાં સ્થિરતા માટે સરકારે સમય-સમય પર વિવિધ પગલાં લીધાં છે. ચાર દેશમાં તેતાલીસ રૂટ પર ત્રણ સો તોતેર કિસાન રેલ સેવાઓ કાર્યરત છે. અને તેમાં એક લાખ વીસ હજાર ટનથી વધુ ચીજવસ્તુઓનું પરિવહન કરાયું. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં સાડા સાત ટકાના ઘટાડા પછી તેમાં મામુલી વધારો થયો હતો. આ મુલાકાત દરમિયાન તેઓ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય અગ્રણીઓ સાથે ભારત અને અમેરિકા વચ્ચેની સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત કરવા અંગે વિચાર વિમર્શ કરશે. ત્રેવીસ માર્ચે પુણેમાં તમામ વનડે મેચ રમાવાની છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારે આજે ચાર વર્ષ પુરા કર્યા આ વન ડે શ્રેણી માટે ભારતની ટીમમાં બેસમેન સૂર્યકુમાર યાદવ ત્રણ ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણ મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ડર કુણાલ પંડ્યાને લેવામાં આવ્યા છે અગાઉ આઠ માર્ચ બે હજાર સોળ ના રોજ ભારત ડાયનામિક્સ લિમિટેડ સાથે કરાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે પાટનગર લખનૌમાં મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં કોઈ તોફાનો થયાં નથી, અને તમામ ઉત્સવો શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાયા છે. ચહલ, કુલદીપ, યાદવ, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, સિરાજ. પ્રસિધ્ધ કૃષ્ણા અને શાલ ઠાકુર પણ ટીમમાં સામેલ છે. સરકારે પુનરૂચ્ચાર કર્યો છે કે કોવિડની રસી સલામત છે, અને તેની અસરકારકતા પર કોઈ શંકા હોવી જોઈએ નહીં. સમાપન સમારોહમાં બંને દેશોની સાંસ્કૃતિક બાબતો અને અનોખી પરંપરાગત પ્રતિભાનું પ્રદર્શન કરાયું. પચાસ નેશનલ ટી.એમ.સી. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પાંચ સભ્યોના પ્રતિનિધિ મંડળે આજે નવી દિલ્હીમાં ચૂંટણી પંચને મળીને પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીઓ મુક્ત અને નિષ્પક્ષ મતદાન સંબંધિત મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. દેશમાં કોવિડની રસીને લઈને અત્યાર સુધીમાં ઓછામાં ઓછી આડઅસરો નોંધાઈ છે. એક ટવીટમાં મોરિશિયસના પ્રધાનમંત્રીના વરિષ્ઠ સલાહકાર અને કોવિડ રાષ્ટ્રીય રસીકરણ સમિતિના અધ્યક્ષ ઝુંબર જુમાયે આ માહિતી આપી ગયા. નવેમ્બર મહિનામાં મૂડીઝે ભારતનો જી.ડી.પી. નવ અંદાજ્યો હતો.